ચાક સાથે સરળ રંગોળી ડિઝાઇનફ્રીહેન્ડ સાથે સરળ રંગોળી ડિઝાઇન તે રંગોળીના સૌથી લોકપ્રિય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા પ્રકારોમાંથી એક છે. ફ્રીહેન્ડ રંગોળી વિવિધ રંગોથી બનાવી શકાય છે અને કોઈપણ પ્રસંગે દરેક ઘરમાં જોઈ શકાય છે. રંગોળીની શૈલી પણ 'રંગોલીના એવરગ્રીન વેરિઅન્ટ' દ્વારા જાય છે. ફ્રીહેન્ડરંગોળી છે જે એક મજબૂત સંદેશ આપે છે અને તમને સાર્વજનિક સેટિંગ્સને સુંદર બનાવતી વખતે તમારા વિચારો વ્યક્ત કરવાની મંજૂરી આપે છે. ફ્રીહેન્ડ દ્વારા સરળ રંગોળી ડિઝાઇનફૂલોની પાંખડીઓ સાથે સરળ રંગોળી ડિઝાઇન તે અન્ય સરળ અને સરળ રંગોળી ડિઝાઇન છે, જે સમકાલીન છે અને સુંદર ફૂલોની પાંખડીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ગુલાબ, મેરીગોલ્ડ્સ અને કમળ જેવા ફૂલોની સુખદ સુગંધ સાથે ફૂલોની પાંખડીઓ દૃષ્ટિ માટે ખૂબઆકર્ષક લાગે છે. કેરળમાં ઓણમ પૂકલમ ઉજવણી દરમિયાન સામાન્ય રીતે ફૂલોની પાંખડીઓની રંગોળી જોવા મળે છે. પણ વાંચોફ્લાવર પોટ ડિઝાઇન ફૂલોની પાંખડીઓ સાથે સરળ રંગોળી ડિઝાઇનસરળ રંગોળી ડિઝાઇનસંસ્કાર ભારતી સંસ્કાર ભારતીનું નામ તેની જટિલ પેટર્ન અને ડિઝાઇનને કારણે રાખવામાં આવ્યું છે. ડિઝાઈન મહારાષ્ટ્રમાં ઉદ્ભવી અને સૌથી લોકપ્રિય રંગોળી ડિઝાઈન છે. તે અનેક વર્તુળો દર્શાવે છે, દરેક આપણા જીવનમાં ચોક્કસ સંસ્કારનું પ્રતીક છે. તમે વિવિધ રંગો સાથે વિવિધ કદના વર્તુળોમાં ભરીને સરળ ડિઝાઇન બનાવી શકો છો અથવા પાતળી રેખાઓથી બનેલી પેટર્નનો ઉપયોગ કરીને વધુ જટિલ ડિઝાઇન ઉમેરી શકો છો. સરળ રંગોળી ડિઝાઇનસંસ્કાર ભારતીસરળ રંગોળી ડિઝાઇનઅલ્પના રંગોળીના સૌથી શુભ પ્રકારને અલ્પના કહેવામાં આવે છે, જે ચોખાને પીસવાની પેસ્ટમાંથી બનાવવામાં આવે છે. રંગોળીની ખાસિયતછે કે તમે તેને ત્રણ આંગળીઓથી બનાવી શકો છો. દુર્ગા પૂજા અને દિવાળી જેવા આવશ્યક પ્રસંગોએ દેવી લક્ષ્મીને આવકારવા માટે તે ઘણીવાર ફક્ત બંગાળીઓ દ્વારાડિઝાઇન કરવામાં આવે છે. સરળ રંગોળી ડિઝાઇનઅલ્પનાક્વિલિંગ સાથે સરળ રંગોળી ડિઝાઇન ક્વિલિંગ વડે બનાવેલી રંગોળી સંપૂર્ણપણે કાગળ આધારિત હોય છે. ક્વિલિંગસુંદર કાગળને લાંબી, પાતળી પટ્ટીઓમાં કાપવાની અથવા રોલિંગ અને પિન્ચિંગના ટુકડાને સ્વરૂપમાં બનાવવાની વાસ્તવિક કળા છે. સરળ રંગોળી ડિઝાઇન બનાવવા માટે તમારે માત્ર એક ક્વિલિંગ બોર્ડ, તમારી પસંદગીના રંગોમાં કેટલીક કાગળની પટ્ટીઓ, સોય, ગુંદર, કાતર અને સંશોધનાત્મક મનની જરૂર પડશે. સરળ રંગોળી ડિઝાઇનરતનરંગોળી ડિઝાઇનમાં ફૂલો, પક્ષીઓ, પાંદડાઓ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે જે ફ્લોર અથવા દિવાલ પર મૂકી શકાય તેવા તત્વોના પૂર્વનિર્ધારિત સંગ્રહ સાથે આવે છે. પાણી પર સરળ રંગોળી ડિઝાઇન પાણીની રંગોળીસૌથી તાજેતરની અને સમકાલીન વિવિધતા છે. ડિઝાઈન બનાવવા માટે લોકો પાણી પર મીણબત્તીઓ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરે છે. આજે પણ વોટરકલર્સનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે હજુ પણ અદભૂત દેખાય છે. ડિઝાઈન બનાવવા માટે જમીન પર ઉપયોગમાં